જમવું એટલે શરીરમાં રહેલા વૈશ્વાનરના પ્રતિનિધિ કાયાગ્નિને આહુતિ આપવી. આયુર્વેદ અનુસાર ઋષિમુનિઓ જે પણ વાત કરે તેનો હેતુ દીર્ઘાયુ હોય. મતલબ, સંપૂર્ણ સ્વસ્થ અને ઉર્જાવાન સો વર્ષનું આયુષ્ય યોગ્ય રીતે પસાર થાય તેની આવશ્યક કાળજી લેવાની વાત આયુર્વેદની સંહિતાઓમાં કરવામાં આવી છે અને વિશેષતઃ ચરકસંહિતામાં. શરીર દસ ઇન્દ્રિયો,સત્વ, આત્મા – આ ચારેયનો સંયોગ ટકાવી રાખવાનું કામ કરે છે કાયાગ્નિ. એટલે જ જ્યારે કોઈનું મૃત્યુ થાય તો કહેવાય છે કે "શરીર ઠંડુ પડી ગયું". કાયાગ્નિ બંધ થાય એટલે મૃત્યુ થાય. આ કાયાગ્નિને ટકાવી રાખવા માટે સૌથી પહેલાં ધ્યાન રાખવું પડે તેના ઇંધણનું – એટલે કે આહારનું. શું જમવું? ક્યારે જમવું? કેટલું જમવું? શું જમવું – આમ જોવા જઈએ તો ગૃહિણી જે નક્કી કરે, આખા પરિવારે એ જ જમવાનું હોયને! હકીકત એવી છે કે તમામ ભારતીય પરિવારની પરંપરાગત ભોજનવ્યવસ્થા આયુર્વેદ અનુસાર જ ચાલી રહી છે. કોઈ પણ નવા નિયમો કે રિસર્ચની આંટીઘૂંટીમાં સપડાયા વિના માત્ર એક જ સૂત્રનું પાલન કરવાથી શું જમવું એ સ્પષ્ટ થઈ જશે. સૂત્ર છે: દાદા-દાદી અને નાના-નાનીએ જે ખાધું હોય એ ખવાય અને એમણે જે ના ખાધું હોય તે ના ખવાય. પેઢી દર પેઢી ભોજન સાથે આપણા શરીરની પાચન વ્યવસ્થાનો જે તાલમેલ છે તે વધુને વધુ સારો બનતો જાય છે. ભોજન સુપાચ્ય અને સ્વાદિષ્ટ હોય તેટલું પૂરતું છે. ઋતુ અને પ્રસંગોપાત આપણા ભોજનમાં અનેક વાનગીઓ આવતી જ રહે છે. જેમાંથી ઉર્જા ઉત્પન્ન કરવાનું કાર્ય આપણું પાચનતંત્ર ખૂબ સારી રીતે કરી શકે છે, કારણ છે સદીઓનો અનુભવ. કોઈ નવો કે અળવીતરો પ્રયોગ ના કરવામાં આવે તો શું જમવું એ જ્ઞાન આપણને વારસામાં મળ્યું જ છે, બસ એને સાચવી રાખવું એ આપણી જવાબદારી છે. ગરમગરમજમવું,કારણકે તે સુપાચ્ય બની જાય છે. ભારતીય ગાયના ઘી યુક્ત ભોજન જ જમવું. જેમ યજ્ઞને ઘીની આહુતી આપવાથી અગ્નિ યોગ્ય રહે છે, તેમજ ભોજનમાં ઘીનો યોગ્ય ઉપયોગ કરવાથી શરીરનો પાચકાગ્નિ યોગ્ય રહે છે. તાજું જ જમવું. ગરમ રાંધેલો ખોરાક ત્રણ કલાક સુધી તાજો કહેવાય. એને ફ્રીઝમાં મૂકી રાખવાથી પણ એ ત્રણ કલાક જ તાજો કહેવાય, ત્યારબાદ વાસી. એનો મતલબ, ત્રણ કલાક પહેલાં રાંધેલો ખોરાક લેવાથી પાચનતંત્ર ઉપર ભાર વધે છે અને અપચો થવાની શક્યતા વધે છે. અપચો એટલે તમામ રોગોનું મૂળ. તેનાથી બચવું એ બુદ્ધિશાળી લોકોની પ્રાથમિકતા હોય છે. ક્યારે જમવું? કોઈ પણ પ્રકારના નિયમોની માયાજાળમાં ફસાયા વિના, સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરીને આ બાબતને સમજવી. "ભૂખ લાગે ત્યારે જ જમવું". જો સવારે બ્રેકફાસ્ટના સમયે કોઈને ભૂખ ના લાગે તો તેવ્યક્તિએ નાસ્તો ના જ કરવો જોઈએ. જેને સવારે ભૂખ